તે હવે સામાન્ય જ્ઞાન છે કે વર્ષ સુધી આપણી પાસે આપણા મહાસાગરોમાં માછલી કરતા વધુ પ્લાસ્ટિક હશે. લગભગ સાત વર્ષ પહેલાં, મારો મિત્ર અને કોફાઉન્ડર રાજ અને હું, અમે નક્કી કર્યું કે અમે ધ્યાન કેન્દ્રિત કરીશું, આ વિશાળ સમસ્યા હલ કરવા પર અમે સ્થાનિક રિસાયકલરો સાથે વાત કરીને હૈદરાબાદ શહેરની આસપાસ ગયા. ખૂબ જ ટૂંક સમયમાં, અમને જાણવા મળ્યું કે ત્યાં ઘણા રિસાયકલ હતા માત્ર એકલા હૈદરાબાદમાં. અમને તરત સમજાયું કે આજના પ્લાસ્ટિક રિસાયક્લિંગ ઉદ્યોગ સાઠ અને સિતેર ના દાયકાના દૂધ ઉદ્યોગ થી વધારે અલગ નથી. ભારત માં દૂધનું ઉત્પાદન સીમાંત દૂધ ખેડુતો દ્વારા થાય છે, બે કે ત્રણ ગાય અથવા ભેંસ સાથે, જે દિવસમાં પાંચથી દસ લિટર દૂધ નું ઉત્પાદન કરે છે. આંખ આડા કાન કરવાને બદલે પશ્ચિમ તરફથી ઉકેલો, દૂધ સહકારી મોડેલમાં ભારત ચેમ્પિયન થયું, જ્યાં હજારો નાના પાયે રિસાયકલને જૂથોમાં સાથે લાવવામાં આવ્યા હતા. સ્કેલ સાથે નવીનતા આવી અને રોકાણો,ભારત દૂધની ખામીવાળા દેશથી લઈને વિશ્વના અગ્રણી દૂધના નિકાસકાર અને ઉત્પાદક માં પરિવર્તન થયું. તે આપણા પર આધારીત છે કે ભૂતકાળમાં ભારતે દૂધની ઉણપ જેવી મોટી સમસ્યાઓનું સમાધાન કર્યું હતું. આપણા સમયનો સૌથી મૂળભૂત મુદ્દો એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણ છે, તે હલ કરવામાં પ્રેરણા મેળવવા માટે આપણે ફક્ત આપણા ભૂતકાળ તરફ પાછા જોવાની જરૂર છે, પરંતુ આપણે આ કરી શકીએ તે પહેલાં અથવા બ્રાન્ડસ્ રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકે તે પહેલાં, આપણે બે વસ્તુઓને હલ કરવી પડશે. ગુણવત્તા અને દર અમારા માટે કાઢી નાખેલા પ્લાસ્ટિકમાંથી શેમ્પૂ ની બોટલ બનાવવા માટે, આપણે હજારો ટન છોડેલા પ્લાસ્ટિક એકત્રિત કરવા પડે છે. તે માટે, આપણને ડેટાની જરૂર હતી. રાજ અને મેં એક સરળ ગુપ્ત માહિતીનું પ્લેટફોર્મ બનાવ્યું છે જેને અમને તમામ રિસાયકલનો નકશો બનાવવાની મંજૂરી આપી હતી, અમને હૈદરાબાદના દરેક રિસાયકલનો પક્ષીનો દૃષ્ટિકોણ આપે છે. પરિણામો આશ્ચર્યજનક હતા. ત્યાં માત્ર એકલા હૈદરાબાદમાં કબાડીવાળા હતા. તેનો અર્થ એ કે દરેક ચોરસ કિલોમીટર માટે, ત્યાં ચાર કબાડીવાળા અથવા અનૌપચારિક રિસાયકલ હતા. સમગ્ર વિશ્વમાં કોઈ વિકસિત દેશ અથવા શહેરમાં આવી તેજસ્વી સંગ્રહ સિસ્ટમની લક્ઝરી નથી. એકવાર અમારી પાસે માહિતી આવી ગઇ, બાકી એકદમ સીધું હતું. અમે અનૌપચારિક રિસાયકલ સાથે વેપાર શરૂ કર્યો, અમે તેમને અમારા ગુણવત્તાની વિશિષ્ટતાઓના આધારે સામગ્રીને અલગ કરવા માટે તાલીમ આપવાનું શરૂ કર્યું. છેલ્લાં પાંચ વર્ષોમાં, અમે દક્ષિણ ભારતમાં ઘણા ક્લસ્ટરો વિકસિત કર્યા છે, આવા હજારો અનૌપચારિક રિસાયકલનો સમાવેશ, જે સીધી અને ડિજિટલ રીતે અમારી સાથે સંપર્ક કરે છે.